એક સ્વિમિંગ પૂલ અને ત્રણ બંગલા સાથે, સલમાન ખાનને તેનું પનવેલ ફાર્મહાઉસ પસંદ છે અને તેણે લોકડાઉનમાં તેનો મોટો સમય પસાર કર્યો હોવાનું જાણીતું છે. તેઓ ખેતી અને સાયકલ ચલાવવા જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતા અને ત્યાં તેમનો મોટાભાગનો સમય પસાર કરતા. સલમાન ખાનના ફાર્મહાઉસની અંદાજિત કિંમત એકરમાં ફેલાયેલી છે, અને તે બી-ટાઉન માટે કેટલીક ભવ્ય પાર્ટીઓ ફેંકવા માટે જાણીતું છે. સલમાન ખાન અને તેના નજીકના મિત્રો મોટાભાગે તેમના વીકએન્ડફાર્મહાઉસમાં વિતાવે છે, જે બેચલર પેડ જેટલું સારું છે. તે કોઈ રહસ્ય નથી કે સલમાન ખાન એક સક્રિય અને ફિટ વ્યક્તિ છે જે વર્કઆઉટ અને શેપમાં રહેવાનું પસંદ કરે છે. તેઓ તેમના ફાર્મહાઉસમાં આરામ કરતા હોય ત્યારે તેમની કસરતની પદ્ધતિમાં અવરોધઆવે તેની ખાતરી કરવા માટે ઉપલબ્ધ શ્રેષ્ઠ સાધનો સાથેનું અત્યાધુનિક વ્યાયામશાળા છે. ઇન્સ્ટાગ્રામ પરપોસ્ટ જુઓ સલમાન ખાન દ્વારા શેર કરાયેલ પોસ્ટ સલમાન ખાનના ફાર્મહાઉસમાં અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝ સલમાન ખાનના અન્ય ઘરોબે પ્રોપર્ટી સિવાય, સલમાન ખાનના ઘરની યાદીમાં દુબઈમાં બુર્જ પેસિફિક ટાવર્સમાં એક એપાર્ટમેન્ટ, બાંદ્રા બેન્ડસ્ટેન્ડ ખાતે એક આલીશાન ટ્રિપ્લેક્સ ફ્લેટ, કાર્ટર રોડ પરનો એક ફ્લેટ અને વરલી ખાતે સ્ટર્લિંગ સી ફેસ ખાતેનો અન્ય એક ફ્લેટનો સમાવેશ થાય છે. જો કે, ગેલેક્સી એપાર્ટમેન્ટછે જ્યાં સલમાન ખાન તેનો મોટાભાગનો સમય વિતાવે છે અને તે તેનું કુટુંબનું ઘર છે. સલમાન ખાન મુંબઈમાં માળની સી ફેસિંગ હોટેલ બનાવવાની યોજના ધરાવે છે તાજેતરના અહેવાલ મુજબ, સલમાન ખાન મુંબઈમાં પ્રાઇમ લોકેશન પર માળની હોટલ બનાવવાની યોજના ધરાવે છે. અભિનેતાનો પરિવાર બોલિવૂડના એવા ઘણા પરિવારોમાંનો એક છે જેમણે રિયલ એસ્ટેટમાં ઘણું રોકાણ કર્યું છે. તેના પિતા સલીમ ખાને પણ અગાઉ જણાવ્યું હતું કે તે સલમાન ખાન સહિત તેના પરિવાર માટે પ્રોપર્ટી ખરીદે છે. સલમાનને તેની માતા સલમા ખાનની માલિકીના સમુદ્ર તરફના કાર્ટર રોડ પ્લોટ પર હોટલ માટે તરફથી મંજૂરી મળી છે. પ્લોટમાં એક સમયે રહેણાંક સ્ટારલેટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી હતી. અફવાઓ એવી છે કે ખાન પરિવારે શરૂઆતમાં તેને રહેણાંક મકાનમાં પુનઃનિર્માણ કરવાની યોજના બનાવી હતી. તેઓએ હવે તેમનો વિચાર બદલી નાખ્યો હશે. આર્કિટેક્ટ ફર્મ, સપ્રે એન્ડ એસોસિએટ્સ, જેણે હંમેશા ખાનોનું પ્રતિનિધિત્વ કર્યું છે, તેણેમીટર લાંબા કેન્દ્રીય વાતાનુકૂલિત કોમર્શિયલ બિલ્ડિંગ માટે સુધારેલી યોજનાઓ પ્રસ્તાવિત કરી છે. યોજનાઓ દર્શાવે છે કે બિલ્ડિંગમાં પહેલા અને બીજા માળે એક કાફે અને રેસ્ટોરન્ટ, ત્રીજા માળે એક જિમ અને સ્વિમિંગ પૂલ, ચોથા અને છઠ્ઠા માળે એક કન્વેન્શન સેન્ટર હશે. હોટલ માટે સાતમાથી મા માળનો ઉપયોગ કરવામાં આવશે. સેલેબ હોમ્સ પર વધુ અક્ષય કુમાર હાઉસ મુંબઈ શાહરૂખ ખાન હાઉસ મન્નત